આ સાથે અભિનેત્રીએ રોમાન્સ માટે બોલિવૂડના સૌથી ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશનમાં તેના રોકાણની ઘણી શાનદાર તસવીરો પણ શેર કરી છે. અને સ્વિત્ઝર્લેન્ડમાં હોટ ચોકલેટની પણ મજા માણી હતી. મુનમુન દત્તા વર્ષોથી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ભાગ છે. તેના પાત્ર બબીતા જી અને અભિનેતા દિલીપ જોશીના પાત્ર જેઠાલાલ વચ્ચેની મજા ચાહકોને ગમે છે. બબીતા જી જેઠાલાલના એકતરફી પ્રેમથી અજાણ છે અને આના કારણે તે ક્રેઝી વસ્તુઓ કરે છે, જે જોવામાં દર્શકો માટે મજા આવે છે. દિલબર દિલબર ગીતથી દરેકના દિલમાં જગ્યા બનાવનાર નોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. નોરા ઘણીવાર જીમમાંથી બહાર નીકળતી વખતે અને ક્યારેક સેટ પર પહોંચતી વખતે પાપારાઝીના કેમેરામાં કેદ થાય છે. આ દિવસોમાં નોરા રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયર્સમાં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં તે ઘણીવાર નીતુ કપૂર, માર્ઝી પેસ્ટનજી અને ટેરેન્સ લુઈસ સાથે મસ્તી કરતી જોવા મળે છે. હાલમાં જ તેના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં તે તૈયાર થતી જોવા મળી રહી છે. તે જ બીજા વીડિયોમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી પણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે એવા સમાચાર પણ ચર્ચામાં આવ્યા છે કે નોરા ફતેહી પ્રેગ્નેન્ટ છે. આ વાત ફેલાતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. લોકો જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે, કે લગ્ન પહેલા જ આ કેવી રીતે થયું? ત્યારે નોરા ફતેહીએ જ આ વાતનો ખુલાસો કર્યો છે. એક ફની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પછી લોકોને એવું લાગવા લાગ્યું કે નોરા માતા બનવા જઈ રહી છે. જોકે, પાછળથી એ સ્પષ્ટ થયું કે બધા જજ ખરેખર નીતુ કપૂરની વહુ અને અભિનેત્રી આલિયાની પ્રેગ્નન્સી વિશે વાત કરી રહ્યા હતા. હકીકતમાં, તાજેતરમાં આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર બધાને કહ્યું હતું કે તે માતા બનવાની છે અને તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે. નોરાની વાત કરીએ તો વાયરલ વિડીયોમાં તે સેટ પર આ વખતે ગુલાબી સાડીમાં જોવા મળી હતી.